મ્યુચલ ફંડ એક સારો ઓપ્શન છે એટલા માટે પૈસાની બચત કરી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટમાં ઇન્વેસ્ટ કરીએ. આ નિર્ણયો લેવામાં લોકોને ખૂબ લાંબો સમય લાગે છે. આવવામાં ઘણો બધો સમય પસાર થઈ જાય છે પછી તેઓ વર્ષો બાદ વિચારે છે કે જો આપણે એ સમયે રોકાણ શરૂ કરી દીધું હોત તો આજે વધારે ફાયદો મળી રહ્યો હોત. ચીજોને નજરઅંદાજ કરવી, શું તમે જાણો છો કે કેટલાક મામલામાં આપણા કે બીજાની સલાહ બોન બોનસ નો કામ કરે છે. એટલે કે જે વસ્તુમાં આપણે નજર અંદાજ કરી દઈએ છીએ બીજા વ્યક્તિ તે કામ કરીને ફાયદો ઉઠાવી લે છે. એટલા માટે કામ લાંબુ કે કઠિન ભલે હોય તેને કરવાની કોશીશ જરૂર કરો. હંમેશા ડરીને રહેવું, ઘણી વખત લોકો બિલકુલ પણ જોખમ લે લેવા નથી માંગતા હો હોતા અને પોતાના બચત કરેલા પૈસા ફિક્સ્ડ ડિપોઝિટમાં લગાવી દે છે. એનું પરિણામ એ હોય છે કે પોતાના રિટાયરમેન્ટ પ્લાન્ટ ને પણ મજબૂતાઈ નથી આપી શકતા. જો કે શેર માર્કેટમાં રોકાણ કરવું ખોટો નિર્ણય નથી. પરંતુ કેટલાક એવા રિસ્ક હોય છે જે તમે ઓછી ઉંમરમાં લઈ શકો છો.પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં ભલે તમારે રિસ્ક લેતા પહેલાં બે વખત વિચારવું પડશે, પરંતુ બાવીસ વર્ષની ઉંમરમાં તમે આ નિર્ણય લઈને એકવાર પરિણામ જોઈ શકો છો. પોતાની ક્ષમતા અનુસાર ખર્ચ કરો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે બાળકો માટે એજ્યુકેશન ફંડથી વધારે વેલ્યુ લૉગ ટેબલેટ ફોન ખરીદી આપીએ છીએ. આપણી આવક અને બચતનો નિર્ણય આપણા ઓફિસના સાથી સંબંધીઓ અને પડોશીઓના ફેસબુક પોસ્ટ ઉપર નિર્ભર કરે છે. કોણે શું ખરીદ્યું, શું વેચ્યું, ક્યાં ક્યાં ફરવા ગયા વગેરે વગેરે. ઓછા શબ્દોમાં કહીએ છીએ તો પોતાની ચાદર જોઈને જ પગ લાંબાવા જોઈએ. હંમેશા ફ્રી વસ્તુઓ મેળવવાની ચાહ રાખવી, ફ્રી નો સામાન કોને પસંદ નથી આવતો. પરંતુ જ્યારે નાણાકીય ફાયદાની વાત હોય તો આ રીતની વિચારધારણા રાખવી ખોટી વાત છે. ક્રેડિટ કાર્ડ કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે વીમા મળનારી ઇન્સ્યોરન્સ પોલિસી હંમેશા કામમાં નહીં આવે. એક શેર બજારના દલીલને તમે એવા શેર ખરીદવાનો સુજાવ આપતા જોયો છે જે એ તેઓ પહેલા ઓછી કિંમત પર ખરીદ્યા હોય. પરંતુ કોઇ પ્રકારના સારા દલાલ કે એક્સપર્ટની સલાહ લઈને જ રોકાણ કર